સોનિયા ગાંધી માટે અવસર, કોંગ્રેસ માટે શું? સોનિયા ગાંધીની હાજરી એટલા માટે મહત્વ ધરાવે છે કે રાજનીતિમાં તેમની ઇનિંગ અનેક દશક જુની થઈ ગઈ છે. જેવું વ્યક્તિત્વ છે જેનાથી અનેક નેતાઓ સાથે સારા સંબંધ છે. અનેક વિપક્ષી પાર્ટીઓની સાથે સમય-સમય પર સરકાર બનાવી છે. આવી સ્થિતિમાં સોનિયા ગાંધીની બેઠકમાં હાજરી ઘણું ખરું બદલી શકે છે. આવામાં સમજી શકાય છે કે હજી સુધી ચહેરા માટે કોઈ નિર્ણય આવ્યો નથી. પરંતુ સોનિયા ગાંધીને એકવાર ફરીથી યુ.પી. એના ચેરપર્સન બનાવી શકે છે. બે રાજ્યો વચ્ચેની હિંસા ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો કેવી રીતે બની? માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી જેવા દિગ્ગજ નેતાનું બેઠકમાં આવવું બીજા અનેક દળો માટે એક ચહેરાને પસંદ કરવું મુશ્કેલ સાબિત કરી શકે છે. આવું એટલા માટે કારણ કે અનુભવના આધાર પર તેઓ અનેક નેતાઓથી આગળ છે. તેમનાથી વધારે અનુભવ ધરાવતી શ્રેણીમાં શરદ પવાર આવે છે. નાની પાર્ટીઓને સાથે લાવવા પર ભાર. સોનિયા ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ બીજી વિપક્ષી એક્તાવાળી બેઠક માટે તૈયારી કરી રહ્યા છે. માત્ર મોટા દળોને સાથે લાવવાની વાત નથી, પરંતુ નાની-નાની પાર્ટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે જ્યારે ભાજપને હરાવવાની વાત આવે ત્યારે બધા સાથે આવશે. આ કારણે બેંગ્લુરુ બેઠકમાં આ વખતે કેરળ કોંગ્રેસ, કેડીએમકે, એમડીએમકે, વીસીકે, આરએસી જેવા પક્ષોને પણ બોલાવ્યા છે. કેજરીવાલનું આવવા પર સસ્પેન્સ હવે આટલા બાધા દળોને સાથે લાવવાની વાત થઈ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીને સામેલ થવા પર સસ્પેન્સ બનેલું છે. કારણ સરળ છે દિલ્હી અધ્યાદેશ પર હજી સુધી કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ નક્કી કર્યું નથી. આવી સ્થિતિમાં આપ કોઈ પણ બેઠકમાં સામેલ થવા ઇચ્છતી નથી. હવે વિપક્ષી એક્તાની બીજી બેઠક સત્તર-અઢાર જુલાઈએ થનારી છે. આ બેઠકમાં શું નિર્ણય આવશે એ ભવિષ્ય પર ટકેલું છે. આ સમયે સ્થિતિ એવી છે કે રાજધાનીમાં યમુનાનું જળ સ્તર રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગયું છે. દિલ્હીમાં બુધવારે યુમના નદીનું જળસ્તર રેકોર્ડ બસો સાત પોઈન્ટ પંચાવન મીટર પર પહોંચી ગયું છે. આ પહેલા ઓગણીસો ઇઠ્યોતેર માં નદીનું જળસ્તર બસો સાત પોઈન્ટ ઓગણપચાસ મીટર પહોંચવાનો રેકોર્ડ હતો. સરકારી એજન્સીઓએ આ જાણકારી આપી છે. કથળતી જતી સ્થિતિને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમના તરફથી અપીલ કરવામાં આવી હતી કે જે લોકો યમુનાની નજીક રહે છે તેઓ તાત્કાલિક રાહત શિબિરમાં જાય.